જેમાં તેમણે કહ્યું હતું કે, મને લાખ રૂપિયા રોકડા અને તે સિવાયના બીજા કરોડ રૂપિયા કહો ત્યાં આંગડીયુ અથવા બેન્ક ટ્રાન્સફરની ઓફર પણ મને આપી હતી. જો કે મે જ્યારે આનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મારા પર દબાણ લાવવા માટે મારા પરિવાર અને મારા સસરા પક્ષના લોકો દ્વારા મારા પર દબાણ લાવવા માટે ધમકી આપવામાં આવી હતી. લોકો મારા પરિવાર સુધી પહોંચ્યા તેના કારણે મને સમસ્યા થઇ હતી. ભાજપના પૂર્વ મંત્રી પર કર્યા હતા આક્ષેપ જેથી હવેલોકો મને ફસાવવા માટેના ષડયંત્રો રચી રહ્યા છે. જો કે રાજકીય કિન્નાખોરી રાખીને મને પોલીસ પ્રોટેક્શ પણ આપવામાં આવ્યું નથી. લોકો સતત મને ફસાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. જે આરોપીઓ છે તેને સરકારી સાક્ષી બનાવીને મને ફસાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના એક નેતા કે જેનું કદ મારા કારણે ઘટ્યું છે. પોતાનું મંત્રીપદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તે નેતા હાલ મારી પાછળ હાથ ધોઇને પડ્યા છે. એકવાર પુછાઇ ગયું હતું કે કોણ યુવરાજસિંહ? આજે તેને યુવરાજસિંહ કોણ તેનો જવાબ ચારે તરફથી મળી રહ્યો છે. લોકો ગુનેગારને બચાવવા માટે મેદાને પડ્યા છે. મને તકલીફ છે કેલોકો ગુનેગારોની પડખે કેમ ઉભા છે?